જવાબ: મેં દીદીના ગીતો વિશે લખ્યું નથી. તે બાળપણમાં શું હતું, બાબાના અવસાન પછી તે કેવી બદલાઈ ગઈ. લોકો લતા મંગેશકરના ગીતો જાણે છે, પણ લતા મંગેશકર એટલે શું તે પુસ્તક દ્વારા ખબર પડશે. તેઓએ ખૂબ સંઘર્ષ કર્યો છે, તેઓએ ખૂબ મુશ્કેલી ઉભી કરી છે, તેઓ શું હતા અને શું બની ગયા છે. સવાલ: નાના ભાઈ-બહેનની જવાબદારીને કારણે લતાજીએ લગ્ન ન કર્યા, પરંતુ પછીથી તમે કુટુંબ સ્થાયી થયા પછી તેમને લગ્ન માટે રાજી કરવાનો પ્રયત્ન કર્યો? તે ખૂબ સફળ, સક્ષમ હતી, બધું હતું, તેણી પાસે ઘણી દરખાસ્તો હોવી જ જોઇએ? જવાબ: તે સાચી વાત છે, તેમની પાસે બધું હતું પણ અમે પણ ત્યાં હતા. તે અમારા સિવાય કાંઈ કરી શકી નહીં. જો તેઓ લગ્ન કરે છે, તો તે મારાથી દૂર થઈ જાય જે તેવું ઇચ્છતા ન હતા. તેથી દીદીએ લગ્ન ન કર્યા. સવાલ: પરંતુ પરિવાર તો કહેતો હશે? જવાબ: મમ્મી તેની સાથે બોલતા હતા, પરંતુ તેમણે ના કહ્યું. કારણ કે અમે બીજા કોઈ નહીં પણ પાંચેય હતા. હું દસ વર્ષની હતી ત્યારે બાબા ચાલ્યા ગયા. તે પછી આશા મારાથી બે વર્ષ નાની હતી. હદાવિનાથ ખૂબ નાનો હતો. હા, જો લતા દીદીની જગ્યાએ હડવેનાથ મોટા થયા હોત, તો અમારું જીવન અલગ હોત. સવાલ: આજે આપણે બોલિવૂડમાં વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, પરંતુ તે યુગમાં જે રીતે લતા મંગેશકરે સંગીત ઉદ્યોગ પર શાસન કર્યું હતું, તેની પોતાની શરતો પર અભિનય કર્યો હતો, તે એક મહિલા કલાકાર આજે ઉદ્યોગમાં આવી જગ્યા બનાવી શક્યો છે? જવાબ: મને તો નથી દેખાતું. તે મારી બહેન છે, માત્ર કહેતી નથી. હું તેના મ્યુઝિક ડિરેક્ટર પણ રહી ચૂકી છું, એક કલાકાર તરીકે હું તેના વિશે વાત કરું છું. તેમના જેવું કોઈ કલાકાર નથી થયું. સવાલ: જ્યારે પણ મંગેશકર બહેનોનો ઉલ્લેખ થાય છે, જ્યારે તેમની વચ્ચે દુશ્મનાવટની વાત આવે છે, ત્યારે તેમાં કેટલું સત્ય છે? ઓ. પી. નૈયર જીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે,લતા અને આશા મુંબઈના પેડર રોડરના જુદા જુદા છેડે રહેતા હતા. બંને એકસરખા બનાવવામાં આવ્યા હતા. જ્યારે લતા અહીંથી કામ પર જતા ત્યારે તે આશાને કહેતી કે, કેવી રીતે આજે લતા દીદીએ એક સારું ગીત ગાય છે અને આશા નર્વસ થઈ ગઈ જવાબ: એવું કશું નથી. ઓ. પી. નાયર સર દિદીનું ગીત ગાવા માંગતા હતા. પણ દીદી પાસે સમય નહોતો. તે સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ગાતી હતી. નાયર સર આ વાતથી ગુસ્સે થયા.